જોમી જીબીકાના નેતા મિર્ઝા હકીમે કહ્યું કે, પરિણામો દર્શાવે છે કે ભાંગરે ટીએમસીને નકારી કાઢી હતી. તેઓએ અમને સીટો માટે નોમિનેશન ભરવાથી બળજબરીથી રોક્યા હતા. અમે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો ચુકાદો અમારા પક્ષમાં આવશે તો અમે બેઠકોમાંથી બહુબધી બેઠકો જીતીશું. નેતા નૌશાદ સિદ્દીકીએ કહ્યું કે, જાણતી હતી કે, જો સાચા અર્થમાં લોકતાંત્રિક ચૂંટણી થશે તો તેઓ હારશે. તેથી નોમિનેશનનો સમયગાળો શરૂ થયા પછી, તેઓએ કોઈ અંત સુધી આતંક ફેલાવ્યો. જ્યાં પણ વિપક્ષો પલટવાર કરી શક્યા હતા, ત્યાં તેઓએ સારો દેખાવ કર્યો હતો. અભિષેક બેનર્જીએ જનતાનો આભાર માન્યો હતો ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પક્ષને સમર્થન આપવા બદલ પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો હતો. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારને બદનામ કરવા માટે પાયાવિહોણા પ્રચાર સાથેનું દૂષિત અભિયાન પણ મતદારોને પ્રભાવિત કરી શકશે નહીં.